તે હજુ પણ વાસ્તુ મુજબ લિવિંગ રૂમ માટે પડદાના ખૂબ ભલામણ કરેલ રંગોમાંનો એક છે. કાલાતીત સરજામ સાથે નારંગી સફેદ પડધા શુદ્ધતા, સ્વચ્છતા, નિખાલસતા, નિર્દોષતા, સાદગી અને લાવણ્ય બધું સફેદ રંગ સાથે સંકળાયેલું છે. પરંતુ સફેદ રંગમાં જવાનું ટાળવાનો પ્રયાસ કરો કારણ કે તે એકલતા અને એકલતાને પ્રોત્સાહન આપે છે. તેને સોનેરી, લીલો, વાદળી અથવા તમારી પસંદગીના કોઈપણ રંગ સાથે મિક્સ કરો. જાંબલી શાંત વાદળી અને ઉમદા, શક્તિ આપનારી લાલનું મિશ્રણ છે. જાંબલી એક રંગ છે જે રોયલ્ટી સાથે જોડાયેલ છે. તે સત્તા, કુલીનતા, સંપત્તિ અને આકાંક્ષાની નિશાની છે. જાંબલી એક રંગ છે જે જ્ઞાન, ગૌરવ, સ્વતંત્રતા, સર્જનાત્મકતા, રહસ્ય અને મોહની છબીઓ બનાવે છે. જાંબલી સાથે અલગ જુઓ, લાલ પડધા લાલ રંગ આકર્ષક છે. તે વાસના, જુસ્સો, ભૌતિકવાદ, મૂળભૂત શક્તિઓ, બહાદુરી, શક્તિ, નાટક, લાગણીઓ, ક્રિયા, ઉત્કટતા, આક્રમકતા, ઉષ્મા, ઉર્જા અને જીવંતતા સાથે સંકળાયેલ છે. લાલ રંગ વાસ્તુ મુજબ લિવિંગ રૂમ માટે પડદાના રંગોમાંનો એક છે પરંતુ તેને વધુ પડતો કરો. તેને તટસ્થ અથવા પેસ્ટલ શેડ્સ સાથે મિક્સ કરો. લાલ સાથે બોલ્ડ બ્રાઉન કર્ટેન્સ જો તમે તટસ્થ માટીના શેડ્સના શોખીન છો, તો બ્રાઉન કર્ટેન્સ તમારા માટે શ્રેષ્ઠ છે. બ્રાઉન સંતોષ, આરામ, સ્થિરતા અને પૃથ્વી તત્વનો રંગ છે. વાસ્તવમાં, વાસ્તુ અનુસાર પડદાનો રંગ ખૂબ તટસ્થ માનવામાં આવે છે અને સૌંદર્યલક્ષી રીતે દરેક પ્રકારની સજાવટ સાથે કામ કરે છે. ઉત્તમ નમૂનાના ધરતીનું બ્રાઉન ગુલાબી પડધા જ્યારે પડદાની વાત આવે ત્યારે અન્ય અનન્ય પરંતુ શ્રેષ્ઠ પસંદગી ગુલાબી છે. બેબી પિંક અને બ્રાઈટ બંને ઘરની એકંદર સજાવટમાં ચોક્કસ સ્તરની નરમાઈ ઉમેરે છે. ગુલાબી પ્રેમની છાયા છે જે સાર્વત્રિક રીતે ઓળખાય છે. શયનખંડ માટે વાસ્તુ અનુસાર તે આનંદ, આત્મીયતા અને સર્જનાત્મકતાનું પણ પ્રતીક છે. ગ્રે કર્ટેન્સ વાસ્તુશાસ્ત્ર અનુસાર સંવેદનશીલતા અને રક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રે આધુનિક, ઓછામાં ઓછા અને સ્કેન્ડિનેવિયન આંતરિકમાં પણ સામાન્ય રંગ છે. વાસ્તુ મુજબ, જ્યારે લીલાને કાળા અને સફેદ રંગ સાથે જોડવામાં આવે છે, ત્યારે તે ખૂબ શુભ માનવામાં આવે છે. પ્રમાણભૂત ગ્રે સોનાના પડદા તમારા રૂમના ત્વરિત ઉત્થાન માટે, સોનાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. વાસ્તુ અનુસાર લિવિંગ રૂમ માટે સોનાના પડદાના રંગોની પણ ભલામણ કરવામાં આવે છે. સોનાને મગજ અને આશાવાદ સાથે કોણ સાંકળતું નથી? કોઈપણ પ્રકારના બેડરૂમ અથવા લિવિંગ રૂમ માટે સોનું એક અદ્ભુત રંગ છે કારણ કે તે એક શાહી રંગ છે. સોના સાથે વૈભવીનો સ્પર્શ પેટર્ન વાળી કર્ટેન્સ વાસ્તુ મુજબ દરેક પડદાનો રંગ તેનું મહત્વ ધરાવે છે કારણ કે દરેક રંગ ચોક્કસ ઊર્જાને ઉત્તેજીત કરે છે અને ઘરમાં કંપન ઉત્પન્ન કરે.